હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.. પછી સમારેલી લીલી મરચી નાંખો.. આ તમામને સારી રીતે મસળી લો.. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.. હવે તેલમાંથી કાઢી ગરમા-ગરમ પિરસો. કેવી રીતે બનાવશો?. એક મિક્સિંગ બાઉલમાં બાફેલા બટાકા લો.. હવે સિંધવ મીઠું અને કોથમીર મેળવો.. પછી સમારેલી લીલી મરચી નાંખો.. આ તમામને સારી રીતે મસળી લો.. હવે સિંગોડાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરો.. ધીમે-ધીમે કરીને પાણી મેળવતા જાઓ અને ઘટ્ટ ઘોળ બનાવી લો.. કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.. હવે ચમચીની મદદથી એક-એક કરીને પકોડીઓ તેજ આંચ પર તળતા રહો.. પકોડીઓની સાઇડ બદલતા રહો કે જેથી બંને તરફથી તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય.. તાજેતરમાં આનો એક નમૂનો જોવા મળ્યો છે. બિહારના એક નાનકડા ગામનો એક છોકરો અમરજીત જયકર બોલિવૂડ બ્રેક સેલિબ્રિટી બન્યો. પોતાના ખૂબ જ સુંદર અવાજના કારણે આ છોકરો ઈન્ટરનેટ પર છવાયેલો રહ્યો અને વાયરલ થઈને તેનો અવાજ સોનુ સૂદ ના કાન સુધી પહોંચ્યો હતો. સોનુ સૂદે આ છોકરાને એવી તક આપી, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હોય. વાસ્તવમાં, અમરજીત જાકરનો એક વીડિયો ગત દિવસોમાં વાયરલ થયો હતો, જેમાં તે દાંત સાફ કરતી વખતે પ્રખ્યાત ગીત 'દિલ દે દિયા હૈ જાન તુમ્હે દેંગે' ગાતો જોવા મળ્યો હતો.